આ અભયારણ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધ શ્રેણીનું ઘર છે જે તેને પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન ઉત્સાહીઓ માટે એક લોકપ્રિય સ્થળ બનાવે છે. ચાલો અભયારણ્ય શું પ્રદાન કરે છે તેના પર નજીકથી નજર કરીએ. અભયારણ્યની વનસ્પતિ પણ ખૂબ જ વૈવિધ્યસભર છે. અભયારણ્યના નીચલા પ્રદેશો ઓક, રોડોડેન્ડ્રોન અને પાઈનના જંગલોમાં આવરી લેવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો આલ્પાઈન ઘાસના મેદાનો, સ્નોફિલ્ડ્સ અને ગ્લેશિયર્સનું ઘર છે. અભયારણ્યમાં ટ્રેકિંગના રસ્તાઓ કેદારનાથ વન્યજીવ અભયારણ્યમાં અસંખ્ય ટ્રેકિંગ ટ્રેલ્સ છે જે મુલાકાતીઓને અભયારણ્યની સુંદરતાનું અન્વેષણ કરવા દે છે અને કેટલાક વન્યજીવોને પણ જોવા દે છે જે તેને ઘર કહે છે. આ ટ્રેક મુશ્કેલીમાં ભિન્ન હોય છે, તેથી મુલાકાતીઓએ તેમના ફિટનેસ સ્તર અને અનુભવને અનુરૂપ એક પસંદ કરવું જોઈએ. અભયારણ્યની શોધખોળ માટેની ટિપ્સ જો તમે કેદારનાથ વન્યજીવ અભયારણ્યનું અન્વેષણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે કેટલીક ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ, અભયારણ્યમાં પ્રવેશતા પહેલા જરૂરી પરવાનગીઓ અને પરવાનગીઓ મેળવવી મહત્વપૂર્ણ છે. ગૌરીકુંડમાં વન વિભાગની ઓફિસમાં આ કરી શકાય છે. તમને અભયારણ્યમાં નેવિગેટ કરવામાં મદદ કરવા માટે સ્થાનિક માર્ગદર્શક અથવા પોર્ટરને ભાડે રાખવું પણ મહત્વપૂર્ણ છે. તેઓ માત્ર વિવિધ વન્યપ્રાણી પ્રજાતિઓ અને વનસ્પતિને દર્શાવવામાં સમર્થ હશે જ નહીં, પરંતુ તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે તમે તમારા ટ્રેક દરમિયાન સુરક્ષિત રહો. છેલ્લે, મુલાકાતીઓએ પણ અભયારણ્યના નિયમો અને નિયમોનું સન્માન કરવાની કાળજી લેવી જોઈએ.